ખરેખર દર કાર્ડિયોવાસ્ક્યુલર મૃત્યુદર નોંધપાત્ર ઘટાડો થયો છે પાછલા દાયકામાં. આપણે નવા દાખલામાં સ્થળાંતર કરવાની જરૂર પડશે પ્રગતિ પ્રકારની બનાવવા માટે, ચાલુ રાખવા માટે જેનો આપણે ટેવાઈ ગયા છીએ. આ દૃષ્ટાંતમાં માનસિક પરિબળો આગળ અને કેન્દ્ર હોવું જરૂરી છે કેવી રીતે આપણે હૃદયની સમસ્યાઓ ને વિશે વિચારીએ છીએ. આ એક ચડાવ પરની લડાઇ હશે અને તે એક ડોમેન રહે છે તે મોટે ભાગે અવ્યવસ્થિત છે. ધ અમેરિકન હાર્ટ એસોસિએશન હજી ભાવનાત્મક તાણી ની સૂચિ આપતું નથી. સંશોધનક્ષમ જોખમ પરિબળ તરીકે હૃદય રોગ માટે કદાચ ભાગમાં કારણ કે લોહીનું કોલેસ્ટરોલ ઓછી કરવા માટે ખૂબ સરળ છે ભાવનાત્મક અને સામાજિક વિક્ષેપ કરતાં. એક સારી રીત છે. કદાચ જો આપણે તે ઓળખીશું આપણે કહીએ છીએ "તૂટેલા હૃદય". આપણે ખરેખર કેટલી વાર વાત કરીએ છીએ એક વાસ્તવિક તૂટેલા હૃદય વિશે. આપણે વધુ ધ્યાન આપવું જ જોઇએ શક્તિ અને લાગણીઓ મહત્વ આપણા હૃદયની કાળજી લેવામાં. ભાવનાત્મક તાણ મેં શીખ્યા ઘણીવાર જીવન અને મૃત્યુનો વિષય હોય છે. આભાર. તો આ પહેલીવાર છે કે મેં આ વાર્તા જાહેરમાં કહી છે. તેના વ્યક્તિગત પાસાં. યોગી બેરા વિશ્વવિખ્યાત હતા બેઝબોલ ખેલાડી જેમણે કહ્યું, "જો બે નિર્ણય હોય તો એમાંથી એક તો લેવો જ પડશે". સંશોધનકારો હતા એક સદી કરતાં વધુ સમય માટે. રોગપ્રતિકારક શક્તિનો અભ્યાસ કેન્સર સામે લડવાની રીત તરીકે અને કેન્સરની રસીઓ છે, દુર્ભાગ્યે, નિરાશાજનક છે. તેઓએ ફક્ત કેન્સરમાં જ કામ કર્યું છે વાયરસને લીધે સર્વાઇકલ કેન્સર અથવા લીવર કેન્સર જોવા. તેથી મૂળભૂત રીતે કેન્સર સંશોધનકારો વિચારી છોડી દીધી રોગપ્રતિકારક શક્તિનો ઉપયોગ કરીને કેન્સર સામે લડવા માટે. અને રોગપ્રતિકારક શક્તિ કોઈ પણ સંજોગોમાં કેન્સર સામે લડવા માટે વિકસિત નથી. તે પેથોજેન્સ સામે લડવા માટે વિકસિત થયો બહારથી આક્રમણ કરવા. તેથી તેનું કામ બેક્ટેરિયા અને વાયરસને મારવાનું છે. અને કારણ કે રોગપ્રતિકારક શક્તિ મોટા ભાગના કેન્સરની સમસ્યા છે, તે બહારથી આક્રમણ કરતું નથી. તે તેના પોતાના કોષોથી વિકસિત થાય છે. તેથી રોગપ્રતિકારક શક્તિ કેન્સરને ઓળખી સકતી નથી અથવા તે કેન્સર પર હુમલો કરે છે અને આપણા સામાન્ય કોષો પર, સ્વયંપ્રતિરક્ષા રોગો તરફ દોરી જાય છે કોલિટીસ અથવા મલ્ટીપલ સલ સલકેરોસિસ જોવા. તો તમે તેની આસપાસ કેવી રીતે આવશો? અમારો જવાબ સાબિત થયો કુત્રિમ રોગપ્રતિકારક શક્તિ તે ઓળખવા માટે રચાયેલ છે અને કેન્સરના કોષોને મારી નાખવા માટે. તે સાચું છે કે મેં કહ્યું. તમે આનુવંશિક એજનરિંગથી કરો છો અને કૃત્રિમ જીવવિજ્ઞાન થી.